બીજી બાજુ, ટીલ લીલો બોલ્ડ રંગ છે જે વાતાવરણમાં નાટક દાખલ કરે છે. તમારા બેડરૂમ માટે વૈભવી રંગ સંયોજન બનાવવા માટે રંગછટા અને એકસાથે જોડી દો. હેડબોર્ડની દિવાલને ગુલાબી રંગમાં ડિઝાઇન કરો અને સેટિંગમાં અસાધારણ દીપ્તિ આપવા માટે બાકીની દિવાલને ટીલ લીલી રંગ કરો. ઉપરાંત, બેડરૂફ માટે આકર્ષક ગુલાબી અને ટીલ ગ્રીન થીમ બનાવવા માટે સમાન રંગ સંયોજનોમાં બેડ કવર પસંદ કરો. સોનેરી ફર્નિચરના ટુકડા અને પ્રાચીન અને ભવ્ય દેખાતા સુ સુશોભન તત્વોના ઉમેરા સાથે સેટિંગની સુંદરતામાં વધારો કરો. મેજેન્ટા અને ગ્રે બેડરૂમ વોલ કલર કોમ્બિનેશન. મેજેન્ટા અને ગ્રે બેડરૂમ કલર કોમ્બિનેશન સાથે તમામ વાઇબ્રન્સ અને ગ્લેમને આમંત્રિત કરો રંગ "કિરમેમજી" ઉત્સાહ, ખુશી, સંવાદિતા અને ઉત્કટતા સાથે સંકળાયેલ છે. મોટાભાગના મકાનમાલિકો તેમના બેડરૂમ અને લિવિંગ માં ડિઝાઇન કરવા માટે ઘાટા રંગને પસંદ કરે છે. નાટકીય રંગને બેડરૂમમાં એક્સેન્ટ વોલ પર એક આકર્ષક વાઇબ ઇન્જેક્ટ કરવા માટે સામેલ કરો. ઉચ્ચારની દિવાલ પર કિરમજી લાકડાની દિવાલ પેનલ્સ ડિઝાઇન કરો અને છત સુધી રંગેલું ઊની કાપડમાં હેડબોર્ડ ફ્રેમ સાથે રંગના ક્લાસિક ફ્લેરને બમણું કરો. સંતુલિત થીમ બનાવવા માટે બાકીની દિવાલોને ગ્રે રંગ કરો અને વાઇબ્રન્ટ સુટ સેન્ટીંગમાં સૂક્ષ્મતા અને શાં શાંત થવાની ભાવના ઉમેરો. સમાન રંગના સંયોજકમાં બેડકવર પસંદ કરો અને તમારી જગ્યામાં ગ્લેમ ઉમેરવા માટે કુશન અને છોડ દ્વારા ગ્રીન્સનો સમાવેશ કરો. બેડરૂમ દિવાલો માટે ત્રણ રંગ સંયોજનો બ્લુ, વ્હાઇટ અને આઇકવરી કલર કોમ્બિનેશન વાદળી, સફેદ અને હાથીદાંતના રંગનું મિશ્નન બેડ બેડરૂમને આંતરિક ભાગને તાજગી અને વૈભવી વાઇબ્સથી ભરી દે છે તે એક અજમાવી-પરીક્ષણ કરેલ કલર કોમ્બો છે જે પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ થતો નથી! વિશિષ્ટ વાદળી રંગછટા તમારા બેડરૂમ વિસ્તારમાં તદ્દન અલગ અલગ નિવેદનો બનાવે છે. વાદળીના ઘાટા રંગો શુદ્ધિકરણ અને સુઘડતાની હવા આપે છે, જ્યારે હળવા શેડ્સ પ્રકાશમાં સુધારો કરે છે અને જગ્યાને વિશાળ બનાવે છે. સફેદની શાંતિ સાથે રંગોને જોડો. બે રંગો સાથે હાથીદાંતનો ઉમેરો ખૂબશાહી સ્પર્શ પૂરો પાડે છે. યલો, ગ્રે અને ગ્રીન કલર કોમ્બિનેશન તમારા આત્માને ઉત્તેજીત કરવા માટે તમારી ગ્રે અને લીલા બેડરૂમની દિવાલો પર પીળા સૂર્યપ્રકાશનો સ્પર્શ મૂકો. પીળોસૌથી તેજસ્વી રંગોમાંનો એક છે અને તે તેજસ્વી, જ્ઞાન, સુખ, સ્પષ્ટતા અને જીવનશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રે, લીલો અને પીળો રંગનો ઉપયોગ તેજને સંતુલિત કરવા અને વધારાની રોશનીનું સંચાલન કરવા માટે થાય છે. વધુમાં, તે દેખાવને સુઘડ લાવણ્ય અને તપસ્યાનો સ્પર્શ આપે છે. લાલ, પીળો અને વાદળી કલર કોમ્બિનેશન અસામાન્ય રંગની જોડી તમારા રંગીન બેડરૂમમાં વધુ પરિવર્તનશીલ ઉમેરણો પૈકી એક છે, જે ઉત્સુક્સા અને વશીકરણથી ભરપૂર છે. વાઇબ્રન્ટ રંગો વધુ વ્યવસ્થિત અને બિન-ગીચ